દરમિયાન ગઇકાલે સો શિયલ ડિસ્ટનસિંગના નિયમના ભંગ બદલ અમદાવાદનો આલ્ફા વન મોલ સીલ કરવામાં આવ્યા બાદ આજથી મોલમાં સેનીટાઈજેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં લખાણ કરાવાયુ છે કે વિદ્યાર્થીને પરીક્ષા ના દસ પંદર દિવસ પહેલા સુધીમાં કોઈ કોરોના કે એવી કોઇ ચાલીસ લાખ બ્યાસી હજાર વીસ બે શહેરના માગીનગર નૂપુર એપાર્ટમેન્ટના પચ્ચીસ મકાનો ધર્મદેવ સોસાયટી ઇન્દ્રપુરી અને જોધપુરના કેટલાક મકાનો ને આ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા હતા વધુમાં પરીક્ષા પૂરી થયાના પંદર દિવસ સુધીમાં જો કોઈ વિદ્યાર્થીને કોરોના કે એવી બીમારી થશે તો તેની સારવાર નો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભોગવશે રાજ્યમાં કોરોનાથી વધુ બાવીસ વ્યક્તિઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને બે હજાર પાંચ સો નવ થયો છે જેમાં ત્રેસઠ એસોસીએશનના ત્રણ હજાર છ સો વેપારીઓ અને સ્ટાફ સહિત આઠ હજાર લોકોનો આ યોજનામાં સમાવેશ કરાયો છે નવ સો ચુમોતેર દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા છે જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસ સામે જંગ લડ્યા બાદ હાલમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે વિદ્યાર્થી પાસે પરીક્ષા પૂર્વે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવાયા છે આ યોજનામાં રૂપિયા એક હજાર ભરી સભાસદ બનેલા વેપારીઓનું પ્રિમીયમ કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન દસ વર્ષ સુધી ભરશે અને તેની સભાસદ ફી પણ રીફંડેબલ રહેશે જેમાં એઇમ્સ દિલ્હીના ડોક્ટરો સાથે ટેલિફોન ઉપર નિદાન ઉપચાર તેમજ જરૂરી દવા અને ઇજેક્શનો પુરા પાડવાનો સમાવેશ થાય છે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરત શહેરમાં એક સો અઠ્ઠાણું નોંધાયા છે પ્રમુખ લલીતભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે રત્નકલાકારોના આરોગ્યની ધ્યાને રાખીને અગિયાર થી સત્તર ઓગસ્ટ સુધી તમામ હિરાના કારખાના બંધ રાખવામાં આવશે આ પરીક્ષાનું પરિણામ પણ ત્રીસ ઓગસ્ટ પહેલાં જ જાહેર કરવાની ઘોષણા કરાઇ છે ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી ભરતસિંહ સોલંકી કોરોના વાયરસની બીમારીમાંથી સારા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન સારો વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ આપી છે એક તો દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ દરમ્યાન અતિ ભારે વરસાદની આગાહી છે પાંત્રીસ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા કોરોનાથી સાજા થવાનો દર તોતેર જાણવા મળ્યા મુજબ દવાના ભારે ડોઝની અસરને કારણે તેમની કિડનીને પણ અસર પહોંચી હતી હિરા ઉદ્યોગ માલિકો અને રત્નકલાકારોએ આવકાર્યો હતો રાજ્યમાં ત્યાસી દર્દીઓ વેન્ટીલેટર પર છે બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ સાથે જ અમદાવાદ શહેરના કુલ બસ્સો છપ્પન જેટલા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે પંદર પૈકી ત્રણ ત્રણ કેસ અમરેલી શહેરમાં નોંધાયા હતા જિલ્લામાં નોંધાયેલા ચાર સો પંચાણું દર્દી પૈકી હાલમાં એક સો ચુમોતેર દર્દીને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે શ્રી સોલંકી આજથી દોઢેક મહિના પહેલા કોરોના પોઝિટિવ જણાતાં તેમને સૌ પ્રથમ વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લા ડાયમન્ડ એસોસિએશનની બેઠક મળી હતી।